તાજેતરમાં, તેણે ફિલ્મ 'સલામ વેંકી'માં તેના અભિનયની પ્રશંસા કરવા માટે સોશિયલ મીડિયા પર લીધો હતો. રેવતી દ્વારા નિર્દેશિતફિલ્મમાં કાજોલ એક સિંગલ મધર તરીકે મુખ્ય ભૂમિકામાં છે જે તેના પુત્ર સાથે યુએસ જાય છે. ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી હતી, જેમાં ઘણા લોકોએ કામ અને માતૃત્વને સંતુલિત કરવા માટે સંઘર્ષ કરતી સ્ત્રીના કાજોલના સૂક્ષ્મ ચિત્રણની પ્રશંસા કરી હતી. અજય દેવગણ, જેઓ તેમના રિઝર્વ્ડ સ્વભાવ માટે જાણીતા છે, તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે ભાગ્યેસોશિયલ મીડિયા પર જાય છે. જો કે, તેણે 'સલામ વેંકી' માટે અપવાદ કર્યો, અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે "સલામ વેંકીએ મારા પર ભાવનાત્મક રીતે 'ચાર્જ' કર્યો. ખાસ છે. " અજય દેવગણનો તેની પત્ની પ્રત્યે જાહેરમાં સ્નેહનું પ્રદર્શન નવું નથી. બે દાયકાથી વધુ સમયથી પરણેલાકપલ હંમેશા એકબીજાની કારકિર્દીમાં સહયોગી રહ્યા છે. વાસ્તવમાં, કાજોલે ઘણીવાર અજયને પડકારજનક ભૂમિકાઓ નિભાવવા અને તેમના બાળકો માટે સલામત અને સુરક્ષિત ઘરનું વાતાવરણ પૂરું પાડવા માટે પ્રોત્સાહિત કરવા માટે શ્રેય આપ્યો છે. સારાંશઅજય દેવગન હાઉસ નિષ્કર્ષમાં, અજય દેવગણનું ઘર મુંબઈ, ભારતમાં સ્થિત એક પ્રભાવશાળી અને વૈભવી હવેલી છે. ઘર અદભૂત આર્કિટેક્ચર, ઉચ્ચતમ સુવિધાઓ અને આકર્ષક દૃશ્યો ધરાવે છે. આધુનિક અને પરંપરાગત ડિઝાઇન તત્વોના મિશ્રણ સાથે, ઘર અજય દેવગનની વ્યક્તિગત શૈલી અને સ્વાદને પ્રતિબિંબિત કરે છે. ઓલ-વ્હાઇટ લિવિંગ રૂમથી સર્પાકાર દાદર અને ભવ્ય પ્રવેશદ્વાર સુધી, અમે દરેક ખૂણામાં ધાક છીએ. અજય દેવગનનું ઘર એક અભિનેતા તરીકેની તેની સફળતા અને જીવનની શ્રેષ્ઠ બાબતો માટે તેની પ્રશંસાનું પ્રમાણપત્ર છે. અહીં આશા છે કે તમે અજય દેવગનના ઘરની વિગતવાર ઝલકનો આનંદ માણ્યો હશે. અમને નીચે એક ટિપ્પણી સાથે જણાવો. અક્ષય કુમાર હાઉસ મુંબઈ સલમાન ખાન હાઉસ ગેલેક્સી અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી હાઉસ મુંબઈમાં કેટરિના કૈફ હાઉસ સચિન તેંડુલકર હાઉસ કંગના રનૌતનું ઘર હૈદરાબાદમાં અલ્લુ અર્જુનનું ઘર સની લિયોનીના ઘરની અંદર રતન ટાટાનું મુંબઈ હાઉસ। તમારા ઘરની પાર્ટી માટે બર્થડે બલૂન ડેકોરેશનના શ્રેષ્ઠ વિચારો જન્મદિવસ અને ફુગ્ગાઓ એકસાથે જાય છે. જન્મદિવસના બલૂનની સજાવટ પણ પુખ્ત વયના લોકો અને બાળકો દ્વારા સમાન રીતે પ્રિય છે. તેથી, તે આશ્ચર્યજનક નથી કે ફુગ્ગાઓ તમારા જન્મદિવસની સજાવટમાં સંપૂર્ણ ઉમેરો કરે છે, તમારો જન્મદિવસ પણ આનંદ અને આનંદનો પ્રસંગ છે. ઉલ્લેખકરવો, ઘરે જન્મદિવસના બલૂન સજાવટને એસેમ્બલ કરવા માટે કેટલું આર્થિક અને સરળ છે. ફુગ્ગાઓ જન્મદિવસની પાર્ટીઓ અને તમામ પ્રકારની ઉજવણીઓ સાથે પરંપરાગત રીતે અને સગવડતાની બાબતમાં એટલો વિકસ્યો છે કે જ્યાં તેઓ તહેવારોમાં અનિવાર્ય વસ્તુ છે. જો કે,રંગબેરંગી ગેસિયસ ગ્લોબ્સ સાથે અમારી ઘણી પરિચિતતા હોવા